સુરતમાં આવેલા સરણા સરથાણા વિસ્તારમાં બ્રિજની નીચે ગેરકાયદેસર રીતે વસવાટ કરતાં લોકોની વિરુદ્ધ એક જાગૃત નાગરિકે અવાજ ઉઠાવ્યો છે. તેઓએ સુરત શહેરના કમિશનરને અરજી લખતા જણાવ્યું છે કે, સરથાણા જકાતનાકા બ્રીજની નીચે આવેલ માર્ગ અમારો રોજિંદો અવર-જવરનો રસ્તો છે. અમો અરજદારને દિવસમાં ઘણીવાર આ રસ્તા પર અવર-જવર થતી રહેતી હોય છે ત્યારે આ અરજીના માધ્યમથી આપનું નમ્ર ધ્યાન દોરતા રજૂઆત કરવાની છે. આપશ્રીના હકૂમત વિસ્તારમાં આવેલ નેશનલ મોલથી સરથાણા જકાતનાકાથી સીમાડા પેટ્રોલપંપ સુધીના સરથાણા ફલાય ઓવરની નીચે ઘણા લોકો ગેરકાયદેસર રીતે મકાન બનાવીને પોતાના પરિવારની સાથે રહે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા બ્રિજની સારસંભાળ, સ્વચ્છતા તથા દેખરેખના કારણોસાર શહેરના ઘણાં બ્રિજની નીચે પાર્કિંગ કરનાર નાગરિકોની પાસેથી પાર્કિંગ ચાર્જનું ઉઘરાણું કરે છે તો સરથાણા ફલાય ઓવર નીચે રહેતા આ લોકોની પાસેથી પણ વસવાટ કરવા માટેનો કોઈ ચાર્જ વસૂલ કરવામાં આવે છે કે કેમ? જો સુરત મહાનગરપાલિકા દ્વારા સરથાણા બ્રિજની નીચે પાર્કિંગ સિવાયની પ્રવૃતિ માટે કોઈ ચાર્જ લેવામા આવતો નથી તો પછી આ ગેરકાયદેસર વસવાટની વિરુદ્ધ આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? બ્રિજની નીચે દબાણ કરી ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહેલ લોકો દ્વારા જાહેરમાં ચુલો સળગાવીને ધુમાડો કરી વાયુનું પ્રદૂષણ ફેલાવવામાં આવે છે તથા ખાવાનો એંઠવાડ રોડ પર તથા આજુબાજુમાં ફેંકીને ખુબ ગંદકી ફેલાવાની સરકારી મિલકતની સુંદરતા બગાડવામાં આવી રહી છે. આની સિવાય બ્રિજની નીચે રહેતા લોકો દ્વારા ત્યાં જ શૌચક્રિયા કરીને અસ્વચ્છતા ફેલાવી આજુબાજુના વિસ્તારમાં રોગચાળો અથવા તો દુર્ગંધ ફેલાય એવું કરવામાં આવી રહ્યું છે. આમ, બ્રિજની નીચે શૌચ-પેશાબ કરી, એંઠવાડ ફેંકી આજુબાજુમાં ગંદકી ફેલાવવામાં આવી રહી છે જે ખુબ ગંભીર બાબત છે. સુરત મહાનગરપાલિકાએ ઘરવિહોણા લોકો માટે વિવિધ વિસ્તારમાં રેન બસેરા બનાવવામાં આવ્યુ તથા ગરીબો માટે આવાસ પણ બનાવવામાં આવ્યા છે. એમ છતાં પણ બ્રિજ નીચે રહેતા લોકોને આજદિન સુધી રેનબસેરામાં અથવા તો આવાસ યોજનામાં સ્થળાંતર ન કરી, આવા લોકોને સરકારી મિકલતોમાં અથવા તો એની આજુબાજુમાં ગેરકાયદેસર રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે જે ખુબ ગંભીર બાબત છે. ભારતના બંધારણના ભાગ ચાર ના અનુચ્છેદ એક્યાવન મુજબ પર્યાવરણનું જતન કરવાની તથા મિલકતોની જાળવણી કરવાની નાગરિકોની ફરજ છે. આની સિવાય બ્રિજની નીચે રહેતાં લોકો ઘણીવાર જાહેરમાં ઝઘડો કરીને ડરનો માહોલ ફેલાવે છે તથા આ લોકો દ્વારા જાહેરમાં ગાળાગાળી કરીને અભદ્ર વર્તન કરી જાહેર વટેમાર્ગુ તથા ખાસ કરીને રસ્તે આવતી-જતી મહિલાઓને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડે છે. આ બ્રિજની નીચે રહેતા લોકોએ દારૂ તથા ગાંજાનું વેચાણ કરવા વિશે છાપાઓમાં સમાચાર પણ છાપવામાં આવ્યાં છે તથા સોશિયલ મીડીયામાં